મેં પ્રાર્થનાની આવશ્યકતા વિશે વાત કરી છે, અને મેં પ્રાર્થનાના સારનો વ્યવહાર કર્યો છે. આપણે આપણા સાથી પુરુષોની સેવા કરવા માટે જન્મ્યા છીએ, અને જ્યાં સુધી આપણે જાગૃત નહીં હો ત્યાં સુધી તે યોગ્ય રીતે કરી શકતા નથી. અંધકાર અને પ્રકાશની શક્તિઓ વચ્ચે માણસના સ્તનમાં બાહ્ય સંઘર્ષ છે, અને જેની પાસે પ્રાર્થનાનો ચાદર લંગર નથી, તે અંધકારની શક્તિનો ભોગ બનશે. પ્રાર્થનાનો માણસ પોતાની જાત સાથે અને સમગ્ર વિશ્વ સાથે શાંતિ મેળવશે: જે માણસ પ્રાર્થના વિના હૃદયની દુનિયાની બાબતોમાં ચાલે છે તે દુ:ખી થશે અને વિશ્વને પણ દયનીય બનાવશે. આ ઉપરાંત, તેની અસરથી, મૃત્યુની પ્રાર્થના પછી માણસની સ્થિતિ પર, જીવનની આ દુનિયામાં માણસ માટે અમૂલ્ય મૂલ્ય છે. અમે, આશ્રમના કેદીઓ, જે અહીં સત્યની શોધમાં અને સત્યની જીદ માટે આવ્યા હતા, તેઓએ પ્રાર્થનાની અસરકારકતામાં વિશ્વાસ રાખવાનો દાવો કર્યો, પરંતુ આજ સુધી ક્યારેય નહોતા બન્યા, તે મહત્વપૂર્ણ ચિંતાનો વિષય છે. અમે અન્ય બાબતો પર જે કાળજી લીધી છે તે અમે તેને આપ્યું નહીં. હું એક દિવસ મારી નિંદ્રામાંથી જાગ્યો અને મને ખ્યાલ આવી ગયો કે હું આ બાબતમાં મારી ફરજ પર ખૂબ જ બેદરકારી દાખવી રહ્યો છું. તેથી, મેં સખત શિસ્તનું એક પગલું સૂચવ્યું છે, અને તેથી વધુ ખરાબ થવું નથી, મને આશા છે કે અમે તેના માટે વધુ સારા છીએ, તે સ્પષ્ટ છે. ચોમાસુ વરસાદ ની ઋતુ છે. ચોમાસામાં ઘણીવાર અતિશય વરસાદ પડે છે. પરિણામે નદી-નાળાં, કૂવા,તળાવ અને જળાશયો ઉભરાઇ જાય છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળે છે. ખેતરમાંનો પાક ધોવાઈ જાય છે. નદીઓમાં આવેલા પૂરના પાણી ઘણો વિનાશ સર્જે છે. કાચા મકાનો પડી જાય છે. ઘરવખરી અને ઢોરઢાંખર તણાઈ જાય છે. રસ્તાઓ ધોવાઇ જાય છે. રેલવેના પાટા ઉખડી જાય છે. કેટલાય વૃક્ષો પડી જાય છે. તેથી વાહન વ્યવહાર ખોરવાઇ જાય છે. વીજળીના થાંભલા પડી જાય છે. પરિણામે અંધારપટ છવાઈ જાય છે. વળી તાર અને ટેલિફોન સેવા પણ ખોરવાઈ જાય છે. અનેક લોકો નિરાધાર થઇ જાય છે. સરકાર અને સેવાભાવી સંસ્થાઓ પૂરપીડિતોની મદદે દોડી જાય છે. પાણીમાં ફસાયેલા લોકોને બચાવવામાં કેટલીક વાર લશ્કરની મદદ લેવામાં આવે છે. હેલિકોપ્ટર દ્વારા ફુડ પેકેટ ફેકી લોકોને ખાવાનું પહોંચાડવામાં આવે છે. નિરાધાર બની ગયેલા લોકોને સરકારી મકાનો, ગામની ધર્મશાળા કે નિશાળોમાં આશરે આપવામાં આવે છે. પૂરના પાણી ઓસરી જતા મૃતદેહોનો નિકાલ કરવામાં આવે છે. રોગચાળો અટકાવવા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. છતાં ક્યારેક રોગચાળો ફાટી નીકળે છે. ડોક્ટરો લોકોની મદદ માટે દોડી જાય છે. નિરાધાર લોકોને અનાજ અને કપડાની મદદ પહોંચાડવામાં આવે છે. સરકાર તેમને ઘર બનાવવા માટે નાણાંની મદદ પણ આપે છે. અતિવૃષ્ટિ કુદરતી આફત છે તેને 'લીલો દુકાળ' પણ કહે છે.